તમે ઉપરની છબીમાંથી પ્રેરણા લઈ શકો છો, ડાર્ક રિંગ્સ સાથે ઝીણા દાણાવાળા લાકડાનો ઉપયોગ કરી શકો છો અને તેને સાદા પીઓપી સાથે જોડી શકો છો. થોડી સરળ લાઇટ્સ અને આધુનિક ઝુમ્મર ઉમેરો, અને તમારી પાસે આકર્ષક રૂમ તૈયાર થઈ જશે મિરર સાથેની છત માટે શ્રેષ્ઠ પીઓપી ડિઝાઇન વૈભવી ઘરના ભવ્ય વસવાટ કરો છો વિસ્તારમાં અરીસાની વિગતો સાથે આંતરિક છતની ડિઝાઇન. જો તમારી પાસે ઓછી ઊંચાઈવાળી જગ્યા હોય, તો અરીસા સાથેની છત માટે પીઓપી ડિઝાઇન પસંદ કરો. છત પરનો અરીસો સપાટી પરની વસ્તુઓને પ્રતિબિંબિત કરીને ઊંચાઈનો ભ્રમ બનાવે છે, જેનાથી રૂમ તેના કરતા મોટો અને ઊંચો દેખાય છે. તે જગ્યામાં વૈભવી સ્પર્શ પણ ઉમેરે છે અને ભવ્ય અને અદભૂત દેખાય છે. ઉપરની છબી ટોચની ગુણવત્તાવાળા અરીસા અને નાની, નરમ પીળી લાઇટ સાથે છત માટે સરળ પીઓપી ડિઝાઇનનો ઉપયોગ કરે છે. એક ઉડાઉ ઝુમ્મર કાચ પર કેન્દ્રસ્થાને લે છે અને માત્ર સમૃદ્ધિમાં વધારો કરે છે. આ ડિઝાઇન પસંદ કરો અને તે તમારા મહેમાનોનું ધ્યાન ચોક્કસ આકર્ષશે. કોફર્ડ આંતરિક છત ડિઝાઇન, છત માટેની નવીનતમ પીઓપી ડિઝાઇન વૈભવી અને સમકાલીન બંગલામાં સુંદર કોફર્ડ આંતરિક છતની ડિઝાઇન મોટાભાગે કુલીન લોકો માટે આરક્ષિત માનવામાં આવે છે. વૈભવી ઘરોમાં કોફર્ડ છત છટાદાર, પરંપરાગત અને જાજરમાન હોય છે. આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં ચોરસ અથવા લંબચોરસ ગ્રીડની શ્રેણી હોય છે, જેમાં રિસેસ કરેલી અથવા ડૂબી ગયેલી પેનલ હોય છે. ઇતિહાસને પુનરાવર્તિત કરવા બદલ આભાર, છત માટેની લોકપ્રિય પીઓપી ડિઝાઇન હવે પુનરાગમન કરી રહી છે અને તેનો ઉપયોગ સમકાલીન આંતરિકને ફરીથી કરવા માટે કરવામાં આવે છે. ઉપરની છબીમાંથી પ્રેરણા લો. તેમાં ચોરસ કોફર્ડ આંતરિક છત ડિઝાઇન છે, જે અદભૂત લાગે છે. લાઇટ સાથેની છત માટેની નવીનતમ પીઓપી ડિઝાઇન એક વૈભવી લિવિંગ રૂમ જેમાં લાઇટ સાથે છત માટે પીઓપી ડિઝાઇન છે. રૂમના મૂડને સ્પષ્ટ કરવામાં અને જગ્યાના આંતરિક ભાગને વ્યાખ્યાયિત કરવામાં લાઇટિંગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સારી લાઇટિંગ જગ્યાને વધુ તેજસ્વી અને વિશાળ બનાવી શકે છે, જ્યારે ઓછી લાઇટિંગ હૂંફાળું અથવા રોમેન્ટિક અસર બનાવી શકે છે. જો તમે લાઇટ સાથેની છત માટે પીઓપી ડિઝાઇન પસંદ કરવાનું વિચારી રહ્યા હોવ, તો ઉપરની છબીની જેમ અનન્ય અને સુંદર ડિઝાઇન પસંદ કરો. છત માટે કંટાળાજનક લંબચોરસ પીઓપી ડિઝાઇનને ના કહો અને અમૂર્ત અથવા વળાંકવાળા પેટર્ન માટે જાઓ. પછી તેજસ્વી લાઇટ્સનો ઉપયોગ કરો જે છત પરની ડિઝાઇન પર ભાર મૂકે અને તમારા રૂમને પૂરતો પ્રકાશ આપે. મંદિરની આંતરિક છત ડિઝાઇન